અગ્નિનો ધુમાડો ધૂમકેતુની રચના કરે છે" ઋગ્વેદના આ શ્લોકમાં, ધૂમકેતુ ની રચનાનો ઉલ્લેખ છે. વાતાવરણ બહારના કિરણો વેદોમાં પૃથ્વીના વાતાવરણની બહારથી આવતા કિરણોનો ઉલ્લેખ છે. વાયો સમૂહના કિરણો એટલે ઉષ્ણ કિરણો, મરુત સમૂહના કિરણો એટલે ચુંબકીય બળ, રીભુ સમૂહના કિરણો એટલે સૌર કિરણો અવકાશમાં રજકણો વેદોમાં 'રજસ' શબ્દ રજ-ધૂળ માટે વપરાયો છે. આ સુક્ષ્મ કણો અવકાશમાં હોય છે. આ કણો વર્ણવવા "પાંસુ" શબ્દ પણ વપરાયો છે. યજુર્વેદ અને ઋગ્વેદમાં અસંખ્ય કણો ધરાવતા બ્રહ્માંડ માટે "પાંસુરે" શબ્દ વપરાયો છે ભૌતિક વિજ્ઞાન ટેલીગ્રાફી "ધ્રુવીય બળોનો સહારો લઇ, તારે વીજશક્તિના પ્રબળ વાહક તાર યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. તે લશ્કરી કાર્યવાહીમાં ઘણું ઉપયોગી છે પરંતુ તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ" ઋગ્વેદના આ શ્લોકમાં, લશ્કરી કાર્યવાહીમાં ટેલીગ્રાફી ના ઉપયોગનો ઉલ્લેખ છે. વહાણ "ઓ રાજા અને વૈજ્ઞાનિક, તમારી બંને પાસે સમુદ્રનાં અત્યંત ભારે વહાણો છે જેનાથી સંપત્તિ અને જ્ઞાન તમારી પાસે આવે છે" ઋગ્વેદના આ શ્લોકમાં, વહાણનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. "ઓ રાજા અને વૈજ્ઞાનિક, અગાધ સમુદ્રમાં તમે અસંખ્ય હલેસાંવાળા વહાન મારફતે લોકોને એમના ઘરે પહોંચાડીને ખુબ જ પરાક્રમી કાર્ય કરો છો" ઋગ્વેદના આ શ્લોકમાં, વહાણના ઉપયોગનો ઉલ્લેખ છે. વિમાન ઋગ્વેદ "ઓ રાજા અને વિદ્વાન, તમે લોકોના ભલા માટે કાર્ય કરો છો અને એમના લાભ માટે વિમાન આપો છો જે સાત ચક્રવાળું છે અને સમગ્ર પૃથ્વી અને અવકાશનું માપ લઇ શકે છે. તટે ગમે ત્યાં જઈ શકે છે. તે હકીકતમાં તો મનની કરામતનું સર્જન છે" ઋગ્વેદના આ શ્લોકમાં, વિમાનનો ઉલ્લેખ છે. "ઓ રાજા અને વૈજ્ઞાનિક, તમારી પાસેનું વિમાન બાજ પક્ષીના આકારનું છે, આરામદાયક છે, માનવીના મન કરતાંય વેગીલું છે, ત્રણ યંત્રોવાળું છે, અહીં-તહીં ફરે છે અને પવનની જેમ વહી શકે છે. તે ગતિમાન છે અને તમામ વિશ્વો તેના નિયંત્રણમાં છે. આ ચક્રની ધરી ઘણો જ ભાર વહન કરે છે છતાં તે ગરમ થતી નથી તેમજ તે તૂટી પડતી નથી કારણકે તેને શાશ્વત કાર્ય રૂપી પ્રતિકારક શક્તિનો સહારો છે. તે અનાદીકાળથી ફરતું રહે છે" ઋગ્વેદના આ શ્લોકમાં, ઊર્જા એ પાંચ તત્વો નો ગુણધર્મ છે એવો ઉલ્લેખ છે. રસાયણ વિજ્ઞાન પાણીનું બંધારણ "હું આ પ્રક્રિયામાં મિત્ર અને વરુણ નો ઉપયોગ કરું છું. મિત્ર શુદ્ધ છે, સારું શુદ્ધિકરણ કરનાર છે અને ઉચ્ચ તાપમાન ધરાવે છે. વરુણ અશુદ્ધ ધાતુઓનો ક્ષય કરે છે. તે બંને ભેગા થઈને પાણીનું બંધારણ કરે છે" "બે પદાર્થોના સંયોજનથી પાણી બનાવવાની ઈચ્છા ધરાવનારે, ઉચ્ચ તાપમાન ધરાવતા શુદ્ધ હાઇડ્રોજન વાયુ અને 'રીસધ'નો એટલે કે અશુદ્ધ ધાતુઓનો।